દક્ષિણદક્ષિણ દિશા મંગળ સાથે જોડાયેલી છે, અનેદિશામાં મુખ્ય દ્વાર માટે સૌથી વધુ પસંદગીનો રંગ કોરલ લાલ અથવા ગુલાબી છે. દક્ષિણ-પશ્ચિમરાહુ દક્ષિણ-પશ્ચિમમાં શાસક ગ્રહ છે જેનો અર્થ છે કે દક્ષિણ-પશ્ચિમમાં મુખ્ય દ્વાર માટે શ્રેષ્ઠ રંગ લાલ છે લીલો છે. દક્ષિણપૂર્વશુક્ર દક્ષિણપૂર્વ દિશામાં શાસન કરે છે. તેથી,દિશામાં મુખ્ય દ્વાર માટે આદર્શ રંગ ચાંદી-સફેદ હોવો જોઈએ. મુખ્ય ગેટ પેઇન્ટ કલરનું નિષર્ષ ટૂંકમાં, જ્યારે ગેટ પેઇન્ટ કલર પસંદ કરવાની વાત આવે ત્યારે તમારે બહુવિધ બાબતોને ધ્યાનમાં લેવાની જરૂર છે. વિવિધ રંગો વિવિધ બાહ્ય માટે યોગ્ય હોઈ શકે છે. તેઓ વિવિધ પ્રકારની ઊર્જા પણ પ્રતિબિંબિત કરે છે. સામાન્ય ગેટ પેઇન્ટ રંગોમાં કાળો, ભૂરો, વાદળી અને સફેદ સમાવેશ થાય છે. તેમના પ્રતીકવાદ, લોકપ્રિયતા અને અન્ય વિગતો કેટલાક અન્ય મુખ્ય ગેટ પેઇન્ટ રંગોની સાથે ઉપર શેર કરવામાં આવી છે. તમને વધુ સારી પસંદગી કરવામાં મદદ કરવા માટે અમે વિવિધ ગેટ મટિરિયલ્સ વિશે સંક્ષિપ્ત પણ શેર કર્યું છે. અને તમે ગમે તે રંગ, ડિઝાઇન અને સામગ્રી પસંદ કરો છો, ઉપરોક્ત ટીપ્સનો ઉપયોગ કરીને તમારા ગેટને યોગ્ય રીતે સાફ અને જાળવવાનું યાદ રાખો. અન્ય ગેટ અને મુખ્ય દરવાજાના વિચારો વાસ્તુ મુજબ મુખ્ય દ્વારના રંગો મુખ્ય દરવાજા માટે સેફ્ટી ગ્રીલ ગેટ ડિઝાઇન મુખ્ય દરવાજા માટે ડબલ ડોર ગ્રીલ ગેટ ડિઝાઇન ગણેશ સાથે મુખ્ય દરવાજાની ડિઝાઇન સાગના લાકડાના મુખ્ય દરવાજાની કોતરણીની ડિઝાઇન કેરળ થીમ મુખ્ય દરવાજા ડિઝાઇન એક્વેરિયમમાં રાખવા માટે ફેંગ શુઇ માછલીફેંગ શુઇ ટિપ્સ અને છબીઓ તમારા ઘરના આંતરિક ભાગ પર કામ કરતી વખતે, તમારે ફેંગ શુઇની ટીસ્ટ નું પાલન કરવું જોઈએ જે તમારા પરિવારના તમામ સભ્યોની ખુશી અને સમૃદ્ધિમાં વધારો કરશે. તમારા ઘરના બગીચામાં ફેંગશુઈ ફિશ ટેન્ક હોય, દરવાજા પર ફિશ પોન્ડ હોય કે તમારા ઘરની અંદર એક્વેરિયમ હોય,તમામ જગ્યાઓ ફેંગશુઈમાં શુભ માનવામાં આવે છે, ખાસ કરીને જ્યારે તમારી પાસે કાળો મૂર અને એરોવાના હોય. ફેંગ શુઇ માછલીઓ અને તેમના મહત્વ વિશે વધુ જાણવા માંગો છો? અમે તમને આવરી લીધા છે. બ્લોગવિષયને વિગતવાર આવરી લે છે અને તમને તમારા માછલીઘર અથવા તળાવ માટે યોગ્ય સંખ્યા અને પ્રકારની માછલી પસંદ કરવામાં મદદ કરે છે. માછલીઘરમાં કેટલી ફેંગ શુઇ માછલીઓ છે? વિશ્વભરના ફેંગ શુઇ નિષ્ણાતો ફેંગ શુઇ માછલી માટે શુભ નંબર તરીકે નવ નંબરની ભલામણ કરે છે. તેથી,